કેટલીક વસ્તુઓ બગાડ ન થાય તે માટે ઇરાદાપૂર્વક એકત્રિત કરવામાં આવે છે. આમાંથી સ્ટ્રિંગ અને બ્રાઉન પેપર છે, જ્યારે પાર્સલ ખોલવામાં આવે ત્યારે ત્રીજા લોકો દ્વારા રાખવામાં આવે છે. નાની વસ્તુઓ એકઠી કરવી એ ઘેલછા હોઈ શકે છે. એક મહિલા મોડેલ કપડાના અખબારના સ્કેચમાંથી કાપ કરે છે જે તેણી પાસે પૈસા હોય તો ખરીદવા ગમશે. કારણ કે તેણી શ્રીમંત નથી, શક્યતા છે કે તે ક્યારેય આવી ખરીદી કરી શકશે નહીં. તે હાનિકારક ટેવ છે, પરંતુ તે તેના ડેસ્ક ઉપર પથરાય છે. ગંભીર શોખ તરીકે એકત્રિત કરવું એકદમ અલગ છે અને તેના ઘના ફાયદા છે. તે નવરાશના કલાકો માટે આરામ આપે છે, કેમ કે કોઈના ખજાનો જોવામાં હંમેશા આનંદ રહે છે. ઘરમાંથી સંગ્રહ રાખેલ હોવાથી કોઈને મનોરંજન માટે બહાર જવુ પડતું નથી. તેમાં જે પણ શામેલ છે સ્ટેમ્પ્સ, રેકોર્ડ્સ, પુસ્તકોની પ્રથમ આવૃત્તિઓ, ચાઇના સંદર્ભ પુસ્તકોમાં પતથ્થોની ચકાસણી કરવા માટે નવનીતમ ઉમેરો માટે યોગ્ય સ્થાન શોધવાથી લઈને, હંમેશાં તેના સંબંધમાં કંઈક કરવાનું છે. આ શોખ વ્યક્તિને પસંદ કરેલા વિષયમાં જ નહીં, પણ પરં પરંતુ સામાન્ય બાબતોમાં પણ શિક્ષિત કરે છે જેનો જેનો તેના પર થોડો પ્રભાવ પડે છે. અન્ય ફાયદા પણ છે. કોઈને સલાહ મેળવવા, નોંધોની તુલના કરવા, લેખોની આપે કરવા, કોઈની નવનીતમ શોધ વગેરે બતાવવા માટે સમાન વિચારધારાવાળા કલેક્ટર્સને મળવાનું થાય છે. તેથી, મિત્રોના વર્તુળમાં વૃદ્ધિ થાય છે. ટૂંક સમયમાં જ શોખ મુસાફરી તરફ દોરી જાય છે, કદાચ બીજા કોઈ શહેરમાં મળેલી મીટિંગ, સંભવિત કોઈ વિરલ નમૂનાની શોધમાં વિદેશ પ્રવાસ, એકઠા કરનારા દેશ માટે મર્યાદિત નથી. ઘણા વર્ષોથી કોઈ એક વ્યક્તિના શોખ પર સારી રીતે સત્તા બની શકે છે અને સંભવત થોડું મેળાવડાઓને અનૌપચારિક વાતો કરવાનું કહેવામાં આવશે અને પછી જો સફળ થાય તો મોટા પ્રેક્ષકોને. પર્યાવરણ પર માણસના હુમલાઓમાં સૌથી ભયજનક એ હવા, પૃથ્વી, નદીઓ અને સમુદ્રને ઘાતક પદાર્થોથી દૂષિત કરવાનું છે. આ પ્રદૂષણ મોટાભાગના અવ્યવસ્થિત માટે છે; દુષ્ટની સાંકળ તે પ્રારંભ કરે છે તે મોટાભાગના ઉલટાવી શકાય તેવું છે. પર્યાવરણના આ દૂષણમાં રસાયણો એ વિશ્વના સ્વભાવને બદલવામાં રેડિયેશનના અસ્પષ્ટ ભાગીદારો છે; હવામાં પરમાણુ વિસ્ફોટો દ્વારા પ્રકાશિત કિરણોત્સર્ગ, વરસાદમાં પૃથ્વી પર આવે છે, જમીનમાં પ્રવેશ કરે છે, ઘાસ અથવા મકાઈના મકાઈમાં પ્રવેશ કરે છે અથવા ઘઉં ત્યાં ઉગાડવામાં આવે છે અને મનુષ્યના હાડકાં સુધી પહોંચે છે, ત્યાં સુધી તે તેના મૃત્યુ સુધી રહે છે. એ જ રીતે, પાક પર છાંટવામાં આવતા રસાયણો, જમીનમાં લાંબી રહે છે, જીવંત જીવોમાં પ્રવેશ કરે છે, ઝેર અને મૃત્યુની સાંકળમાં એક બીજાથી પસાર થાય છે. અથવા તેઓ ભૂગર્ભ પ્રવાહો દ્વારા પસાર થાય છે ત્યાં સુધી કે તેઓ ઉભરી આવે અને નવા સ્વરૂપોમાં ભેગા થાય કે જે વનસ્પતિને મારી નાખે છે, બીમાર પશુઓ છે અને જેઓ એકવાર શુદ્ધ કુવાઓમાંથી પીતા હોય છે. જે જીવનને ઉત્પન્ન કરવા લાખો વર્ષોનો સમય લાગ્યો હતો જે હવે પૃથ્વી પર રહે છે અને તેની આસપાસના સંતુલન અને સંતુલનના તબક્કે પહોંચી ગયો છે. પર્યાવરણમાં એવો તત્વ હતા જે પ્રતિકૂળ